ઘણા વિવાદો વચ્ચે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે થિયેટરોની બહાર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ચાહકો તો શાહરૂખ ખાનની આ ફિલ્મ જોવા પણ આવ્યા હતા અને તેઓએ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પોતાની પ્રક્રિયાઓ આપી હતી. પરંતુ ફિલ્મમાં ભાઈજાનની એન્ટ્રી જોઈને કેટલાક લોકો ખુશ થયા હતા. હવે જો તમે પણ જોવા માંગો છો કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાને કેવી રીતે એન્ટ્રી કરી છે, તો તેને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ફિલ્મ પઠાણમાં ભાઇજનની એન્ટ્રીનો વિડિઓ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તે વિડિઓમાં જોઇ શકાય છે કે શાહરૂખ ખાન સંપૂર્ણપણે ઘાયલ થયો છે અને જમીન પર પડેલો છે. તે જે જ્યારે સલમાન ખાનની એન્ટ્રી છે. સલમાન ખાનને તેની સામે જોતા, પઠાણ એટલે કે શાહરૂખ ખાન ખૂબ ખુશ થઈ જાય છે. આ પછી ,સલમાન ખાન ફૂલ ફૂલ એક્શન મોડમાં આવે છે અને તે દુશ્મનોને વારો પાડી દે છે. તમે અહીં ફિલ્મ પઠાણમાં સલમાન ખાનની એન્ટ્રીનો વિડીયો જબરજસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. પઠાણની ફિલ્મની અંદર, સલમાન ખાન ઓછામાં ઓછા વીસ મિનિટ કેમિયો કરીને આગ લગાવી દીધી છે. સલમાન ખાને વાઘ બનીને ફિલ્મમાં એન્ટ્રી કરી છે. ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે દિવસ આવી ગયો છે. પઠાણની અંદર સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટીઝર પણ લોકોને બતાવવામાં આવ્યું છે. કે ખેર, એક વાત આપણે કહી શકીએ કે શાહરૂખ ખાન અને સલમાન ખાનને સ્ક્રીન પર એકસાથે જોવું એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. આ વાયરલ વિડીયોમાં સલમાનની ટાઈગર ફ્રેન્ચાઈઝીનું સંગીત અને ચાહકોની સીટીઓ બેકગ્રાઉન્ડમાં સંભળાય રહી છે. આ સીન દરમિયાન સલમાન ખાન પોતાના પ્રખ્યાત દુપટ્ટો હાથમાં પકડીને ગુંડાઓને ધૂળ ચટાડતો જોવા મળે છે. આવી દરમિયાન ફિલ્મ પઠાનમાં સલમાન ખાનના કેમિયોએ જોશ અને જુસ્સો વધારી દીધો છે. તમને જણાવી દીઈએ કે પઠાન ફિલ્મમાં સલમાન ખાનનો અંદાજ ઓછામાં ઓછો વીસ મિનિટનો કેમિયો જોવા માં મળશે.